સોનમ કપૂર લંડન હાઉસમાં ડાઇનિંગ સ્પેસ રસોડાની ડિઝાઇનમાં કેબિનેટના દરવાજાને અલગ કરતી સૂક્ષ્મ પેનલિંગ સાથે કાલાતીત બ્લેક એન્ડ વ્હાઇટ થીમ દર્શાવે છે. વધુમાં, ચીમનીનું ઝીણવટભર્યું એકીકરણ તેને દિવાલમાં એકીકૃત રીતે ભેળવે છે, એક નિર્દોષ દેખાવ બનાવે છે. લાવણ્યનું તત્વ ઉમેરવા માટે, ક્રિસ્ટલ કાસ્ટ ગ્લાસ એન્ટિક પેન્ડન્ટ લાઇટ રસોડાના ટાપુ વિસ્તારને શણગારે છે. રસપ્રદ વાત છે કે, ડાઇનિંગ ટેબલ ખાસ છે કારણ કે તે સોનમ કપૂરે તેના ઘર માટે મેળવેલો પહેલો આંતરિક ભાગ હતો. નક્કર હાર્ડવુડમાંથી બનાવેલ, ટેબલને સિર ટ્રુડોન મીણબત્તી અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે, જે બ્રિટિશ અભિજાત્યપણુનો સ્પર્શ આપે છે. હાથી-માથાવાળા સ્કોન્સીસ, વૉલપેપર સાથે મેળ ખાતા હાથથી મુદ્રિત, અવકાશમાં એક અનોખો અને વિચિત્ર સ્પર્શ ઉમેરે છે. સોનમ કપૂર લંડન હાઉસનો લાઉન્જ એરિયા સોનમ કપૂર લંડન હાઉસમાં લાઉન્જ એરિયા ડાઇનિંગ એરિયાથી દૂર જઈને, અમે સોનમ કપૂરના ઘરના ઈન્ટિરિયર સ્કેપમાં પ્રવેશીએ છીએ જે વિરોધાભાસી તત્વોને એકીકૃત રીતે મિશ્રિત કરે છે. લિવિંગ રૂમ તેણીની મનપસંદ લાઉન્જિંગ સ્પેસ તરીકે સેવા આપે છે, જ્યાં તેણે અરાજકતાની અંદર સુંદરતાના મિશ્રણને કુશળતાપૂર્વક ક્યુરેટ કર્યું છે. આમંત્રિત જગ્યામાં તેના સોફા પર આરામથી સૂઈને, શ્રોફની ઝીણવટપૂર્વક હાથથી બનાવેલી ભારતીય કાર્પેટ પર પગ મૂકીને ફેશનિસ્ટા આરામ કરે છે. પર્ણસમૂહ વૉલપેપરથી શણગારેલું પૃષ્ઠભૂમિ, અમને ઉષ્ણકટિબંધીય સમયરેખા પર લઈ જાય છે. જ્યારે ડેડો વોલ પેનલ ક્લેડીંગ રૂમને સીમલેસ બાઉન્ડ્રી પૂરી પાડે છે આકર્ષક, બિનપરંપરાગત કેન્દ્ર ટેબલ નાટકનું વધારાનું પરિમાણ ઉમેરે છે. સ્ટેન સોફા અને વિચારપૂર્વક મૂકેલા લાઇટિંગ તત્વો અંતિમ દેખાવને જોડે છે, એક સુમેળભર્યું અને મનમોહક વાતાવરણ બનાવે છે. સોનમ કપૂર લંડન હાઉસનો પાવડર રૂમ સોનમ કપૂર પાવડર રૂમ સોનમ કપૂર સાબિત કરે છે કે પાઉડર રૂમ પણ નાટકીય ફ્લેર બહાર કાઢી શકે છે. અનુકૂલિત રંગ યોજના સાથે જે તેણીના જીવંત વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે, પાવડર રૂમ વિસ્તૃત રીતે પ્રિન્ટેડ વૉલપેપર દ્વારા એલિવેટેડ છે. સોનેરી નળ જગ્યાના નાટ્યાત્મક સૌંદર્યને વધુ વધારે છે. ટોટો પોટ્સ પાવડર રૂમની તેણીની પ્રિય વિશેષતા છે, જે એકંદર ડિઝાઇનમાં રમતિયાળતાનો સ્પર્શ ઉમેરે છે. સોનમ કપૂર કેમેરા તરફ જોઈ રહી છે સોનમ કપૂર લંડન હાઉસમાં પર્ણસમૂહથી ભરેલો બેડરૂમ સોનમ કપૂર લંડન હાઉસનો બેડરૂમ સોનમ કપૂરના ઘરના દરેક ખૂણામાં, એક અનોખી વાર્તા પ્રગટ થાય છે, જે મનમોહક આંતરિક માટે પ્રેરણા પૂરી પાડે છે. બેડરૂમ, એક જગ્યા જે ધ્યાન માંગે છે, તે કોઈ અપવાદ નથી. સોનમ કપૂર હાઉસનો એક ખૂણો ન્યૂનતમ શૈલીમાં રચાયેલ, બેડરૂમ આંખને અંદરના આકર્ષક તત્વો પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપે છે. આવી એક વિશેષતા છે ઉષ્ણકટિબંધીય વૉલપેપર, એક ખુશામત કરતું પૃષ્ઠભૂમિ જે કુદરતી સૌંદર્યનો સ્પર્શ